પણ પરિવર્તન તો છે જ ટિકિટ પણ તેમને અપાઈ રહી છે, તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જીતી પણ રહ્યા છે. આ એક મોટો બદલાવ છે અને આનાથી આખા દેશની રાજનીતિ બદલાઈ જશે. પાટીદાર આંદોલન બેહજાર પંદર માં થયું હતું, પરંતુ તે પછી પણ બેહજાર સત્તર માં ભાજપ ફરી સત્તામાં આવી. તમે કહો છો તેમ ઘણા સમુદાયોએ શાસક પક્ષ વિરુદ્ધ આંદોલન કર્યું હતું. તો પરિવર્તન કેમ ન થયું? લોકોએ વારંવાર પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને બેહજાર સાત ની ચૂંટણી પછી ભાજપને દરેક મતદાનમાં ઓછી બેઠકો મેળવી છે. તેમની બેઠકો ક્યારેય વધી નથી. લોકોએ ભાજપને દૂર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોંગ્રેસ ક્યારેય ભાજપને હરાવી શકી નહીં. એવું નથી કે કોંગ્રેસ તે કરી શકી ન હતી. પરંતુ કોંગ્રેસે ભાજપની સામે શરણાગતિ સ્વીકારી, તેઓએ સંકલન કર્યું અને ડિફોલ્ટ સ્થાન બનાવી લીધું. ભાજપે નંબર એક , કોંગ્રેસ નંબર બે અને આ રીતે તેઓ આગળ વધતા રહ્યા. લોકોએ પરિવર્તન માટે મત આપ્યો હતો. પરંતુ કોંગ્રેસ તેનો ઉપયોગ સરકાર બનાવવા માટે કરી શકી નહીં. કોંગ્રેસે લોકોના વોટનો સોદો કર્યો, ક્યારેક વોટ વેચ્યા, ક્યારેક ધારાસભ્યો વેચ્યા તો ક્યારેક ભાજપને ટેકો આપ્યો. બેહજાર સત્તર માં પણ એવું જ થયું, દરેક સમુદાયે કોંગ્રેસને જીતવા માટે વોટ આપ્યો પરંતુ અંતે કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને વેચી દીધા. કોંગ્રેસની શરણાગતિને કારણે ભાજપ એટલી શક્તિશાળી છે. આ પણ વાંચો, કોણ છે ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયા? કોન્સ્ટેબલથી બન્યા કારકુન, મંત્રી પર જૂતું ફેંક્યું અને ગુજરાતમાં જાતિનું રાજકારણ કેટલું સુસંગત છે? અને આદિવાસી વિસ્તારોમાં નું ધ્યાન શા માટે? જ્ઞાતિનું રાજકારણ હંમેશા રહ્યું છે. તેથી આપણે કહી શકીએ નહીં કે તે સમાપ્ત થઈ ગયું છે. પરંતુ લોકો મુદ્દાઓનું રાજકારણ સ્વીકારી રહ્યા છે. લોકો ઇચ્છે છે કે અમે મુદ્દાઓની રાજનીતિને વળગી રહીએ. જાતિ પરિબળ સુસંગત છે કારણ કે ભાજપ અને કોંગ્રેસે તેની ખાતરી કરી છે. પરંતુ લોકો આગળ વધવા માંગે છે. મુદ્દાઓ પર વાત કરવા માંગે છે. તેથી અમે તે જ કરી રહ્યા છીએ. જો તમે બધી રેલીઓને ધ્યાનમાં લો, તો તે રાજકોટ, ભાવનગરમાં થઈ રહી છે, આ આદિવાસી વિસ્તારો નથી. અમે દરેક જગ્યાએ સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાત વિધાનસભા ચૂંટણી, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ધાર્મિક લાગણીથી રાજકીય લાભ મળશે! ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પોતાની ઊર્જા રેડી રહેલા કેજરીવાલ પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પેરાસાઇટ બે પરિવારો વચ્ચેની વાર્તા છે. એક સમૃદ્ધ કુટુંબ બીજા કુટુંબની સેવાઓ પર નિર્ભર છે, તો બીજું